અહીં લેવા માટેના કેટલાક શ્રેષ્ઠ માર્ગો છે:વાયા ઋષિકેશ: ઋષિકેશ ભારતના મુખ્ય શહેરો સાથે રોડ, રેલ અને હવાઈ માર્ગે સારી રીતે જોડાયેલું છે. ઋષિકેશથી, તમે ગુપ્તકાશી માટે ટેક્સી અથવા બસ લઈ શકો છો અને પછી કેદારનાથ જઈ શકો છો. વાયા હરિદ્વાર: હરિદ્વાર એ પ્રદેશનું બીજું મુખ્ય પરિવહન કેન્દ્ર છે. અહીંથી, તમે ટેક્સી અથવા બસ દ્વારા ગુપ્તકાશી જઈ શકો છો અને પછી કેદારનાથ જઈ શકો છો. વાયા દેહરાદૂન: દેહરાદૂન ઉત્તરાખંડની રાજધાની છે અને તેમાં એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન છે. દેહરાદૂનથી, તમે ગુપ્તકાશી માટે ટેક્સી અથવા બસ લઈ શકો છો અને પછી કેદારનાથ જઈ શકો છો. વાયા દિલ્હી: દિલ્હી ભારતના મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે અને તેમાં એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન છે. કેદારનાથ પહોંચવાની ટિપ્સ તમારા પરિવહન અને આવાસ અગાઉથી બુક કરો, ખાસ કરીને પીક સીઝન દરમિયાન. ટ્રેક માટે ગરમ કપડાં, રેઈનકોટ અને આરામદાયક પગરખાં સાથે રાખો. ઊંચાઈની બીમારી માટે તૈયાર રહો, અને જો જરૂરી હોય તો મુસાફરી પહેલાં ડૉક્ટરની સલાહ લો. અધિકારીઓની સૂચનાઓનું પાલન કરો, અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં એકલા ટ્રેક ન કરો. કેદારનાથ પહોંચવું એ પોતાનામાં એક સાહસ છે, અને યાત્રા ગંતવ્યની જેમ સુંદર છે. યોગ્ય આયોજન અને તૈયારી સાથે, વ્યક્તિ કેદારનાથની યાત્રાને યાદગાર અનુભવ બનાવી શકે છે.